અમે શોધ્યું કે તે લગભગ બધા દર્દીઓ ને થાય છે જે પ્રતિક્રિયા કરે છે પરંતુ તે થતું નથી તે દર્દીઓ જેઓ જવાબ આપવામાં નિષ્ફળ જાય છે. તેથી વિરોધાભાસી રીતે તાવનો ઉપચાર થયા પછી દર્દીઓને આશા તહી એવું લાગે છે કે તેમના જીવનનો સૌથી ખરાબ ફલૂ જ્યારે તેઓ સીએઆર ટી-સેલ ઉપચાર મળે છે. તેને આ પ્રતિક્રિયાની આશા છે કારણ કે તેઓ જાણે છે કે તે વળાંક પાથનો ભાગ છે આરોગ્ય પાછા. દુર્ભાગ્યે, દરેક દર્દી સ્વસ્થ થતો નથી. જે દર્દીઓ સીઆરએસ નથી મેળવતા, ઘણીવાર એવા લોકો છે જેનો ઇલાજ નથી થતો. તેથી હવે સીઆરએસ વચ્ચે એક મજબૂત કડી છે અને રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા લ્યુકેમિયા નાબૂદ કરવા માટે. આર.એસ.આ દર્દીઓમાં તે ખૂબ જ અસામાન્ય ઘટના હતી તબીબી ઇતિહાસમાં. એમિલીના ડોકટરો પાસે હવે વધુ કસોટીઓ પૂર્ણ કરી અને અહેવાલ આપ્યો કે થીરટી માંથી ટ્વેન્ટી સેવન દર્દીઓ. પહેલા થીરટીની સારવાર કરી અથવા નાઈન્ટી ટકા સંપૂર્ણ માફી હતી. સીએઆર ટી કોષો પછી એક મહિનાની અંદર નાઈન્ટી ટકા સંપૂર્ણ માફી દર અદ્યતન કેન્સરવાળા દર્દીઓમાં સાંભળ્યું નથી કેન્સર સંશોધન કરતાં વધુ ફિફ્ટી વર્ષોમાં. હકીકતમાં, કંપનીઓ ઘણીવાર કેન્સરની અજમાયશમાં સફળતા જાહેર કરે છે જો દર્દીઓના ફિફટિન ટકા સંપૂર્ણ પ્રતિસાદ દર હતો. એક નોંધપાત્ર અભ્યાસ દેખાયો "ન્યુ ઇંગ્લેંડ જર્નલ મેડિસિન" આંતરરાષ્ટ્રીય અભ્યાસ ત્યારથી તે પરિણામોની પુષ્ટિ થઈ છે. અને તેના કારણે એફડીએ દ્વારા મંજૂરી મળી બાળરોગ અને યુવાન પુખ્ત વયના લોકો માટેના લ્યુકેમિયા. તેથી પ્રથમ વખત મંજૂરી તરીકે કોષ અને જનીન ઉપચારની સીએઆર ટી-સેલ થેરેપીનું પરીક્ષણ કરવામાં આવ્યું પ્રત્યાવર્તન લિમ્ફોમાવાળા પુખ્ત વયના લોકોમાં. તેથી હવે ઘણા પ્રયોગશાળાઓ, ચિકિત્સકો અને વૈજ્ઞાનિકો વિશ્વભરના છે જેમણે કોષોનું પરીક્ષણ કર્યું છે ઘણા વિવિધ રોગોમાં અને સમજી શકાય તે રીતે. આપણે બધા ઝડપી ગતિ સાથે રોમાંચિત છીએ દર્દીઓ જોવા માટે. આપણે ખૂબ આભારી છીએ જે અગાઉ ટર્મિનલ હતા એમિલીની જેમ સ્વસ્થ જીવનમાં પાછા ફરો. લાંબી ક્ષતિઓ જોઈને અમને આનંદ થાય છે. તે હકીકતમાં ઉપાય થઈ શકે છે. તે જ સમયે અમે પણ ચિંતિત છીએ નાણાકીય ખર્ચ વિશે. અને જ્યારે તમે ખર્ચમાં ઉમેરો કરો છો, સીઆરએસ અને અન્ય મુશ્કેલીઓનો ઉપચાર કરવો એક મિલિયન ડોલર કિંમત પહોંચી શકે છે. આપણે તે કિંમત યાદ રાખવી જોઈએ નિષ્ફળતાની જે પણ હોય હાલની અશુદ્ધિક ઉપચાર કેન્સર માટે પણ ખર્ચાળ છે અને વધુમાં દર્દી મૃત્યુ પામે છે. સદભાગ્યે, આ એક નવું અને વિકસિત ક્ષેત્ર છે.